તે આ મુદ્દાઓ પર પણ મૌન હતા. આ ધ્યાન હટાવવાનો અને તેમની સરકારની નિષ્ફળતાઓથી ભાગી જવાનો પ્રયાસ છે. પહેલા રાજ્યસભામાં સંસદીય દળના નેતા ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું હતું કે ટીએમસીએ પણ આવી જ લાઇન લીધી હતી. જ્યારે તમે નોકરીઓ પૂરી પાડી શકતા નથી, જ્યારે તમે મોંઘવારીને નિયંત્રિત કરી શકતા નથી, જ્યારે તમે સામાજિક માળખું ફાડી નાખો છો, જ્યારે તમે આપેલા દરેક વચનને પાળવામાં નિષ્ફળ જાઓ છો તમારી નિરાશામાં, તમે જે કરી શકો છો, તે તમારી ઊંડી વિભાજનકારી રાજનીતિની જ્યોતને પ્રજ્વલિત કરવાનું છે. ઝાએ કહ્યું કે જ્યારે તમે પીએમને સાંભળો છો ક્યારેક તમને લાગે છે કે તે કૂતરો સીટી વગાડવાના પ્રસંગો શોધી રહ્યો છે. બોલતા પહેલા પીએમએ એકવીસ મા કાયદા પંચનો રિપોર્ટ વાંચવો જોઈએ અને તેનો અભ્યાસ કરવો જોઈતો હતો. તેમણે એ પણ અભ્યાસ કરવો જોઈએ કે, કોઈની મદદ વગર, બંધારણ સભામાં શું ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કારણ કે જેઓ તમને મદદ કરી રહ્યા છે તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે,તેમણે કહ્યું કે એક ટ્વિટમાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતની વિવિધતા અને બહુલતાને સમસ્યા માને છે. એટલે જ આવી વાતો કહેવામાં આવે છે. તેઓ કહે છે કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક કર, એક કાયદો, એક સંસ્કૃતિ, એક ધર્મ, એક ઓળખ અને હવે તેઓ એક ખાતરની પણ વાત કરે છે. તે તેની સૌથી મોટી સમસ્યા છે. ડીએમકેના ટીકેએસ એલાન્ગોવને કહ્યું, યુસીસી પહેલા હિંદુ ધર્મમાં લાગુ થવો જોઈએ. દરેક વ્યક્તિ, અનુસૂચિત જાતિ અથવા જનજાતિ અથવા ઉચ્ચ જાતિના લોક. તેમને ભારતના કોઈપણ મંદિરમાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ. તેથી, તેણે પહેલા હિંદુ ધર્મમાં નો અમલ કરવો જોઈએ. શા માટે એક વર્ગના લોકોએ જઈને પૂજા કરવી જોઈએ અને અન્ય લોકો મંદિરના ગર્ભગૃહમાં પણ પ્રવેશ કરી શકતા નથી? એ જણાવ્યું હતું કે તે માં છેલ્લા કાયદા પંચના નિષ્કર્ષને સમર્થન આપે છે કે આ તબક્કે ન તો જરૂરી છે અને ન તો ઇચ્છનીય છે. દે શપીએમ નરેન્દ્ર મોદી રાજકારણ વડાપ્રધાન.મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? ઓપિનિયન પોલમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કરની આગાહી. ડિસેમ્બરમાં યોજનાર વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે મહત્વપૂર્ણ છે. ભાજપ રાજ્યમાં ફરી સરકાર બનાવવા માંગે છે જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવાની કોઇ તક છોડવા માંગતી નથી. મધ્યપ્રદેશમાં આગામી ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.